કોવીડ નવા કેસ વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલા નવા કેસોમાં વિસ્ફોટથી દેશમાં સક્રિય કેસલોડ સતત વધી રહ્યો છે આ તબક્કામાં ત્રીસ મી માર્ચ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે ભારતે ચેમ્પિયનશીપમાં અત્યાર સુધીમાં બાર સુવર્ણચંદ્રક સાત રજતચંદ્રક અને છ કાંસ્યપદક મેળવ્યા છે રોડ ટ્રાન્સપોર્ટ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે મોટર વાહન સંબંધિત દસ્તાવેજોને આપેલી મુદત ત્રીસ જૂન સુધી વધારી દીધી છે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી બોન્ડ જારી કરવા પર પ્રતિબંધ માંગતી અરજી ફગાવી દીધી તેમાં ત્રીસ થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પાંચ સો થી વધુ કારીગરો અને કલાકારો ભાગ લઈ રહ્યા છે ચૂંટણી પ્રચાર આસામ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની આવતીકાલે યોજાનારી પહેલાં તબક્કાની ચૂંટણીમાં બંગાળની ત્રીસ અને આસામની સુડતાલીસ બેઠક માટે મતદાન થશે વિવિધ પ્રયોગશાળાઓએ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના અગિયાર લાખથી વધુ પરીક્ષણો કરાવ્યા છે અને કુલ પરીક્ષણ તેવીસ કરોડ છ્યાસી લાખથી વધુ થયાં છે સંરક્ષણ રો મુલાકાત લો ભારત દક્ષિણ કોરિયા મૈત્રી પાર્કનું દિલ્હી લશ્કરી છાવણી વિસ્તારમાં આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વચ્ચે પહેલી દસ એપ્રિલથી દસમી એપ્રિલ સુધી ચુંટણી બોન્ડ બહાર પડવાના છે બોબડેના અધ્યક્ષપદે ત્રણ જજની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી બે ઓવરમાં એક વિકેટે એક સો છાસઠ રન કર્યા છે અગાઉ વચગાળાના આદેશોમાં રાજકીય પક્ષોને સીલબંધ કવરમાં ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા દાનની વિગતો પંચને સુપરત કરવાની સૂચના આપી છે આ પ્રસંગે ભારતના રાષ્ટ્ર ગીતની ધૂન વગાડવામાં આવી ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી આંતરરાષ્ટ્રીય શુટિંગ વર્લ્ડકપમાં નીરજ કુમાર સ્વપ્નીલ કુસાલે અને ચેન સિંઘની ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો શૂન્ય આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે દક્ષિણ કોરિયાના સંરક્ષણમંત્રી સુહ લૂક ગઈકાલથી ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે તેમાં રાજસ્થાનમાં ત્રણ કર્ણાટકમાં બે અને ગુજરાત ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ નાગાલેન્ડ ઓડિશા તેલંગાણા અને ઉત્તરાખંડની બેઠકોનો સમાવેશ થાય છે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશભરમાં એક દિવસમાં બસ્સો સત્તાવન લોકોનાં મોત થયાં છે અને કુલ આંક એક લાખ સાઈઠ હજારથી વધુ થયો છે વીવીપેટનાં લીધે મતદારને તેને આપેલ મત ક્યાં ઉમેદવારને મળ્યો છે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ચૂંટણી બોન્ડ અગાઉ પણ ઘણી વખત બહાર પાડવામાં આવ્યા છે સાત અને ચૂંટણીમાં તેની વિપરીત અસરના કોઈ પુરાવા નથી લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ગોવામાં સ્થાનિક લોકોમાં રોજગારી માટે આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત લોકસભાની બે બેઠક આંધ્રપ્રદેશની તિરૂપતિ અને કર્ણાટકના બળગાવ તથા અગિયાર રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે બે ઓવરમાં એક વિકેટે એક સો છાસઠ રન કર્યા છે દેશમાં હાલમાં ચાર લાખ એકવીસ હજાર છાસઠ સક્રિય કેસ છે જે કુલ કેસના સાડા ત્રણ ટકા છે ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું શુટિંગ આંતરરાષ્ટ્રીય શુટિંગ વર્લ્ડકપમાં નીરજ કુમાર સ્વપ્નીલ કુસાલે અને ચેન સિંઘની ભારતીય ત્રિપુટીએ આજે પચાસ મીટર રાઇફલ સ્પર્ધામાં પુરુષોની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે પહેલી એપ્રિલથી પિસ્તાલીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની નોંધણી થઈ શકશે।